ગયા અઠવાડિયે એક બ્લોગ પોસ્ટમાં, ઓલ્ટમેન અને અન્ય બે ઓપનએઆઈ એક્ઝિક્યુટિવ્સે શક્તિશાળી સિસ્ટમ્સને જવાબદારીપૂર્વક સંચાલિત કરી શકાય તેવી ઘણી રીતો સૂચવી હતી. તેમણે મુખ્ય ઉત્પાદકો વચ્ચે સહયોગ, મોટા ભાષાના મોડલ્સમાં વધુ ટેકનિકલ સંશોધન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા અને એજન્સી જેવી આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાની રચના માટે આહ્વાન કર્યું, જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગને નિયંત્રિત કરવા માંગે છે. ઓલ્ટમેને એવા નિયમો માટે પણ સમર્થન વ્યક્ત કર્યું છે કે, જેમાં મોટા, અત્યાધુનિક મોડલના ઉત્પાદકોને સરકાર દ્વારા જારી કરાયેલા લાઇસન્સ માટે નોંધણી કરાવવાની જરૂર પડશે. માર્ચમાં, એક હજાર થી વધુ ટેક્નોલોજિસ્ટ્સ અને સંશોધકોએ બીજા એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સૌથી મોટા મોડલના વિકાસ પર છ મહિનાના વિરામની હાકલ કરવામાં આવી હતી, જેમાં "વધુ શક્તિશાળી ડિજિટલ મગજ વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે નિયંત્રણની બહાર અભિગમ" માટે હાકલ કરવામાં આવી હતી. ફ્યુચર ઑફ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત કરાયેલા પત્ર, અન્ય -કેન્દ્રિત બિન નફાકારક, એલોન મસ્ક અને અન્ય જાણીતા ટેક લીડર્સ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં મુખ્ય લેબ્સમાંથી ઘણી સહીઓ દર્શાવવામાં આવી ન હતી. સેન્ટર ફોર એઆઈ સેફ્ટીના નવા નિવેદનની સંક્ષિપ્તતા ફક્ત બાવીસ એઆઈ નિષ્ણાતોને એક કરવા માટે હતી, જેઓ ચોક્કસ જોખમોના સ્વરૂપ વિશે અથવા તે જોખમોને રોકવા માટેના પગલાં વિશે અસંમત હોઈ શકે છે પરંતુ, જેમણે શક્તિશાળી સિસ્ટમ્સ વિશે સામાન્ય દ્રષ્ટિકોણ શેર કર્યું છે. સામાન્ય ચિંતાઓ શેર કરી, હેન્ડ્રીક્સે કહ્યું. "અમે ત્રીસ સંભવિત હસ્તક્ષેપોના વિશાળ મેનૂ માટે દબાણ કરવા માંગતા ન હતા," હેન્ડ્રીક્સે કહ્યું. "જ્યારે તે થાય છે, ત્યારે તે સંદેશને પાતળો કરે છે. " નિવેદન શરૂઆતમાં હિન્ટન સહિત કેટલાક ઉચ્ચ-પ્રોફાઇલ નિષ્ણાતો સાથે શેર કરવામાં આવ્યું હતું, જેમણે વધુ મુક્તપણે બોલવા માટે આ મહિને ની નોકરી છોડી દીધી હતી, તેઓએ સંભવિત મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. ત્યાંથી, તેમણે ઘણી મોટી લેબમાં પ્રવેશ કર્યો, જ્યાં કેટલાક કર્મચારીઓએ સાઇન અપ કર્યું. નેતાઓની ચેતવણીઓ તાકીદમાં વધી છે કારણ કે, લાખો લોકો મનોરંજન, સાહચર્ય અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે ચેટબોટ્સ તરફ વળી રહ્યા છે, અને અંતર્ગત ટેકનોલોજી ઝડપી ક્લિપમાં સુધારી રહી છે. "મને લાગે છે કે જો આ ટેકનિક ખોટી પડે, તો તે ખૂબ જ ખોટી થઈ શકે છે," ઓલ્ટમેને સેનેટ સબકમિટીને કહ્યું. "આવુ ન થાય તે માટે અમે સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એ બુધવારે ભારતીય કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા વિદેશી ભંડોળ માટે માર્ગદર્શિકા કડક કરવાની દરખાસ્ત કરી હતી. અદાણી ગ્રૂપમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં અંતિમ લાભદાયી માલિકો પર દેખરેખના અભાવને લગતી ટીકાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીએ ઉચ્ચ જોખમ ધરાવતા એફપીઆઈને એક જ કોર્પોરેટ જૂથમાં તેમની પચાસ ટકા થી વધુ ઈક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ હોલ્ડિંગ તરીકે વ્યાખ્યાયિત કરી છે.